તેઓ બાળકમાં ભગવાન જોતા. તેઓ જયારે પણ બાળકો સાથે વાતચીત કરતા ત્યારે ખાસ ધ્યાન રાખીને એકદમ સરળ ભાષા જ વાપરતા જેથી દરેક બાળક સમજી શકે અને એનો આનંદ લઇ શકે. એમણે કલકત્તામાં વિશ્વવિખ્યાત શાંતિનિકેતનની સ્થાપના કરી. આથી એમણે ખેતીકામ, પશુપાલન, પોસ્ટ ઓફિસના કામ અને બીજા કામકાજ અંગે પ્રત્યક્ષ માર્ગદર્શન મળે એવી વ્યવસ્થા કરી. એમણે આ વિદ્યાર્થીઓને ગામડાંઓમાં ખેડૂતો અને અભણ લોકોને શિક્ષણ આપવા મોકલ્યા. એમણે કૃષિવિદ્યા શીખવવા શ્રીનિકેતનની સ્થાપના કરી. વિદ્યાર્થીઓ અહીં આધુનિક કૃષિ પદ્ધતિ શીખીને ગામડાંઓમાં ખેડૂતોને તે શીખવવા જતા. ખરેખર રવિન્દ્રનાથ એમના સમય કરતાં ઘણું જ આગળનું વિચારી શકતા હતા! ગુજરાતના મૂકસેવક રવિશંકર મહારાજ રવિશંકર મહારાજનું બાળપણ બાળક રવિશંકરના માતા નાથીબા એને રામાયણ, મહાભારત અને સંસ્કાર કથાઓ કહેતા. આ વાતો સાંભળી નાનકડો રવિ પૂછે,"બા, રામ, લક્ષ્મણ, જાનકીજી, ભીમ એ બધાને ઘોર જંગલમાં જાય તે બીક ના લાગે? રાક્ષસો ના આવે? વાઘ ના આવે? " નાથીબા કહે,"દીકરા બીક તો મનમાં હોય, જો બહાદૂર થઈ આ શરીરને ખડતલ બનાવીએ તો બીક આપણાથી સંતાઈ જાય. " માતાના આ બોલ પકડીને મોટો થયેલ આ બાળ રવિશંકર એવો નિર્ભય થયો કે, સાચે જ એક દિવસ બહારવટિયા સામે બાથ ભીડવા અને એમને સુધારવા નીકળી પડેલ. એમના પિતાશ્રી શિક્ષક એટલે સાદાઈ ને સંયમના પાઠ ભણાવતા. બિહારમાં દુષ્કાળ પડતાં ગુજરાતના મૂકસેવક રવિશંકર મહારાજ નું ગયા જિલ્લાના અંબા ગામમાં રાહતકેન્દ્ર ચાલતું હતું. એક દિવસ રાહતકેન્દ્રમાં અનાજનું વિતરણ થઇ ગયા બાદ બધા ચાલ્યા ગયાં પણ એક બાળક એકલું રડી રહ્યું હતું. જેથી તેની મા ભૂલી ગઇ હશે અથવા દુષ્કાળની સ્થિતિમાં છોડીને ચાલી ગઇ હશે એમ માનીને રવિશંકર મહારાજે બાળકને સ્નેહથી પંપાળ્યો અને બિસ્કિટ આપીને ખોળામાં બેસાડ્યો. રવિશંકર મહારાજ આ બાળકને ગુજરાત લઇ આવ્યા અને પોતાના ત્રીજો દિકરો માનીને ઉછેર કર્યો બાળકને જોઇને રવિશંકર મહારાજે કહેલું કે મારો કૃષ્ણકનૈયો જ બાળરૂપે મારે આંગણે આવ્યો છે જેથી હવે તેને શ્યામ કહીને બોલાવીશ. આમ દાદાએ આ બાળકને શ્યામ નામ આપ્યું અને પિતાની જગ્યાએ તેઓનું નામ આપીને સમાજમાં એક ઓળખ આપી હતી. દાદા માનતા કે શિક્ષણથી જ સમાજની મોટા ભાગની સમસ્યાઓ દૂર થઇ શકે છે. જેથી તેઓ ઇચ્છતા કે શ્યામ સારો શિક્ષક બને. આ શ્યામકુમાર રવિશંકર વ્યાસ ઉમદા શિક્ષક બન્યા. એક દિવસ ચાર-પાંચ જુવાનિયા રવિશંકર મહારાજ પાસે આવ્યા. વાતવાતમાં તેમણે પૂછ્યું: 'મહારાજ, અમે ઈંડાં ખાઈએ તે અંગે તમારો શો અભિપ્રાય છે? ' રવિશંકર મહારાજને થયું: 'એમને શો જવાબ આપું? પણ તરત જ એમનાથી કહેવાઈ ગયું: 'અલ્યા, તમારે ઈંડાં ખાવાં કે નહિ એમાં મને શું પૂછો છો? – એ ઈંડાંની મૂકનાર માને જ પૂછી જુવોને! ' 'પણ દાદા, નિર્જીવ ઈંડાં ખાઈએ તો? ' 'પણ, મને એ તો કહો કે તમારે ઈંડાં ખાવાં છે શું કામ? ' યુવાનોમાંથી એકે કહ્યું: 'કેમ? ઈંડાંમાં પુષ્કળ વિટામીન અને પ્રોટીન હોય છે.